જેમ કે જ્યારે હું પ્રથમ ટિ્વટર પર જોડાયો, મને લાગ્યું કે ઘણા લોકો કે જેમને હું અનુસરી રહ્યો હતો, તેઓ માનસિક આરોગ્ય અને તેના ઉપચાર વિશે વાત કરી રહ્યા હતા જેમ તેઓ વારંવાર લાંછન કરે છે તેવી રીતે નહીં. જ્યારે આપણે આ મુદ્દાઓ વિશે રૂબરૂ વાત કરીએ છીએ તેમના દ્વારા, માનસિક આરોગ્યની વાતચીત સામાન્ય હતી અને તેઓએ મને સમજાવામાં મદદ કરી ઉપચારમાં જવું એટલે કે જે મને પણ મદદ કરશે. હવે, ઘણા લોકો માટે તે એક ડરામણી વિચાર જેવું લાગે છે આ બધા વિષયો વિશે વાત કરતાં તેથી જાહેરમાં ખુલ્લેઆમ ઇન્ટરનેટ પર. પરંતુ મને લાગે છે કે ઇન્ટરનેટ ખરેખર જાણવાની એક મહાન જગ્યા છે અને મને લાગે છે કે આપણે ઉત્તેજના સાથે કરી શકીએ છીએ કારણ કે મારા માટે તમારી અપૂર્ણતાઓને શેર કરવી મહત્વપૂર્ણ છે. હવે જ્યારે કોઈ શેર કરે છે કે તેઓ ઉદાસી અથવા ડર અનુભવે છે અથવા એકલા ઉદાહરણ તરીકે, ત્યારે ખરેખર મને ઓછું એકલવાયું લાગે છે. મારી કોઈ એકલતામાંથી મુક્તિ મેળવીને નહીં, પણ મને બતાવીને કે હું એકલો નથી એકલતા અનુભવવામાં. એક લેખક તરીકે અને એક કલાકાર તરીકે મેં ખૂબ જ કાળજી છે સંવેદનશીલ હોવાનો. આ આરામ મેળવવામાં એક સામાજિક વસ્તુ જે અમે એકબીજા સાથે શેર કરી શકીએ છીએ. હું ઉત્સાહિત છું આંતરિક લાગણીનાં બાહ્યકરણ વિશે. તે અદૃશ્ય વ્યક્તિગત લાગણી વિશે કે જેના માટે મારી પાસે શબ્દો નથી તેમને પ્રકાશમાં રાખીને,શબ્દો મૂકતાં, અને પછી તેમને અન્ય લોકો સાથે શેર કરતાં એ આશામાં કે તે તેમની લાગણીઓ, તે માટે શબ્દો શોધવામાં મદદ કરશે હવે,હું જાણું છું કે આ મોટી વસ્તુ લાગશે. પરંતુ આખરે મને રસ છે આ બધી વસ્તુઓ મૂકવામાં નાના નાના, પહોંચી શકાય તેવા પેકેજોમાં, કારણ કે જ્યારે આપણે તેમને છુપાવી શકીએ આ નાના ટુકડાઓમાં, મને લાગે તેઓનો સંપર્ક કરવો સરળ છે. તેઓ વધુ આનંદકારક છે. મને લાગે છે તેઓ વધુ સરળતાથી મદદ કરે છે. અમારી વહેંચાયેલ માનવતા જુઓ. કેટલીકવાર તે એક ટૂંકી વાર્તાનું સ્વરૂપ લે છે. ક્યારેક તે સ્વરૂપ લે છે ઉદાહરણ તરીકે એક સુંદર પુસ્તક. અને કેટલીકવાર તે સ્વરૂપ લે છે એક મૂર્ખ મજાકનું કે જે હું ઇન્ટરનેટ પર મૂકીશ. જો ત્યાં પ્રેક્ષકોમાં એપ્લિકેશન ડેવલપર્સ છે, કૃપા કરીને વાતચીત પછી મને મળો અથવા મને હંમેશા શેર કરવું ગમે છે. મને ઇમેઇલ મોકલવાની ચિંતા છે. જ્યારે હું ઇમેઇલ્સમાં સહી કરું, "શ્રેષ્ઠ" એટલે હું શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છું. એટલે કૃપા કરીને મને ધિક્કારશો નહિ.